અને પછી તેણે જુગારનાટ લેખકનું પ્લેટફોર્મ વિશે સભવ્યુ. અને તેને તે વિશે શું ગમ્યું કે તેને લાગ્યું કે આ એક જગ્યા છે જ્યાં તે ઉભા રહી શકે માથું અને ખભા ખભા, સમાનરૂપે, ખૂબ જ લેખકો સાથે કે તેણે ખૂબ પ્રશંસા કરી. અને તેથી તેણે લખવાનું શરૂ કર્યું. અને તે છીનવી લીધો એક મિનિટ અહીં, એક કલાક, એરપોર્ટમાં ફ્લાઇટ્સ વચ્ચે, મોડી રાત્રે, જ્યારે તે હતો તેના હાથ પર થોડો સમય. અને તેણે આ લખ્યું અમારા માટે અસાધારણ વાર્તા. તેમણે એક વાર્તા લખી હત્યારાઓના પરિવાર વિશે જે વિન્ડિંગમાં રહેતા હતા જૂની દિલ્હીની ગલીઓ. અમને તે ગમ્યું, તે ખૂબ તાજું અને મૂળ હતું. અને નીરજને તે જાણતા પહેલા, તેણે માત્ર ફિલ્મનો સોદો કર્યો જ નહીં પણ બીજો કરાર બીજી વાર્તા લખવા માટે. નીરજની વાર્તા સૌથી વધુ વાંચેલી છે અમારી એપ્લિકેશન પર વાર્તાઓ. મારી મુસાફરી ખૂબ જ નાનો છે. અમે બે વર્ષ જૂની કંપની છીએ, અને અમારે આગળ લાંબી મજલ કાપવાની છે. પરંતુ અમે પહેલાથી જ, અને અમે કરીશું આ વર્ષના અંત સુધીમાં, લગભગ અડધા મિલિયન વાર્તાઓ છે, ઘણા ડોલર હેઠળ કિંમતવાળી. અમારા મોટાભાગના વાચકોને વાંચન પસંદ છે અને લેખકોને અજમાવી રહ્યા છીએ તેઓ ક્યારેય ક્યારેય સાંભળ્યું નથી. આપણું હોમ પેજ ત્રીસ ટકા વાંચે છે લેખન બહાર આવે છે તે આપણા લેખકના મંચ પરથી આવે છે. દરેક જગ્યાએ રહીને, સુલભ અને સુસંગત હોવા દ્વારા, હું આશા રાખું છું કે દરરોજ વાંચન કરવાની આદત, સરળ અને સહેલાઇથી તમારા ઇમેઇલ તપાસવા તરીકે, ઓનલાઇન ટિકિટ બુકિંગ તરીકે અથવા તમારી કરિયાણાઓને ઓર્ડર આપવી. અને મારા માટે, મે શોધ્યું કે હું સ્માર્ટફોનની છ ઇંચની દુનિયા દાખલ। આપણે જાણીએ કે તે કરવું જરૂરી છે. પ્રશ્ન એ છે: આપણે તે કેવી રીતે કરીએ? અને તેજ હું તમને શીખવવાના અહીં છું. તમારી બચત વિશે તમે કેટલા સ્માર્ટ છો તેનથી અથવા તમારી પાસે શું ઈચ્છાશક્તિ આપણે જે રકમ બચાવીએ, તે આધાર છે આસપાસના પર્યાવરણ પર. ચાલો હું તમને એક ઉદાહરણ આપું. અમે એક જૂથમાં જેમાં એક અભ્યાસ ચલાવ્યો, અમે લોકોને માસિક ધોરણે તેમની આવક બતાતી બતાવી. બીજા જૂથમાં, અમે લોકોને સાપ્તાહિક આધારે તેમની આવક બતાવી. અને જે અમને મળ્યું તે તે લોકો હતા જેમણે સાપ્તાહિક ધોરણે તેમની આવક જોઇ સારી રીતે બજેટ કરવામાં સક્ષમ હતા મહિના દરમ્યાન. હવે, તે જાણવું મહત્વ નુછે કે આપણે બદલાયા નહીં લોકોને કેટલા પૈસા મળતા હતા, આપણે હમણાં જ વાતાવરણ બદલી નાખ્યું છે જેમાં તેઓ તેમની આવક સમજી ગયા હતા. અને પર્યાવરણીય સંકેતો જેમ કે